મીડિયા તેને પકડવામાં ક્યારેય નિષ્ફળ નીવડતું નથી, પછી તે આગામી ફિલ્મના પ્રમોશન માટે હોય કે એરપોર્ટની સામાન્ય મુલાકાત માટે. અજય દેવગનના ઘરની વિગતો કરતાં વધુ જાણવા માંગતા ચાહકો માટે અહીં એક રસપ્રદ ભાગ છે. નીચે તમારા મનપસંદ અભિનેતા વિશેની કેટલીક ઓછી જાણીતી હકીકતો તપાસો. અજયે જુહુની સિલ્વર બીચ હાઈસ્કૂલમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો અને મુંબઈના વિલે પાર્લેની મીઠીબાઈ કોલેજમાંથી સ્નાતક થયા. જ્યારે ચાહકો પહેલાથીજાણે છે કે અજયના પિતા, વીરુ દેવગન, બોલિવૂડમાં એક્શન ડિરેક્ટર હતા, ઘણાને ખબર નથી કે તેનો એક ભાઈ પણ છે. તેમના ભાઈ અનિલ દેવગન પટકથા લેખક છે. અજયે માં તેની ફિલ્મ ફૂલ ઔર કાંટેની રિલીઝ પહેલાં તેનું નામ વિશાલથી બદલીને અજય દેવગણ રાખ્યું હતું. ફૂલ ઔર કાંટે પહેલાં, તેણે માં ફિલ્મ પ્યારી બેહનામાં ડેબ્યૂ કર્યું હતું. અમિતાભ બચ્ચન પછી અજય એકમાત્ર એવો અભિનેતા છે જેને નેશનલ એવોર્ડ મળ્યો છે. તેમણે તેમની ફિલ્મો ઝખ્મ, લિજેન્ડ ઓફ ભગત સિંહ અને તાનાજી માટેજીત મેળવી હતી. તેમાંથી, તેણે તાનાજી માટે રાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા, એક શ્રેષ્ઠ અભિનેતા તરીકે અને બીજો શ્રેષ્ઠ ફિલ્મ માટે. અજય દેવગન પણ પદ્મશ્રી પ્રાપ્તકર્તા છે, જે ભારતનું થું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. શાહરૂખ ખાન અને શિલ્પા શેટ્ટી જેવી હસ્તીઓની જેમ અજય પણ કંપનીનો માલિક છે. આઇકોનિક ફિલ્મ કરણ અર્જુન યાદ છે? તેમાં મેગાસ્ટાર અને સલમાન ખાન જોવા મળ્યા હતા. જોકે, સલમાન ખાનનો રોલ, ઉર્ફે કરણ, શરૂઆતમાં અજયને ઓફર કરવામાં આવ્યો હતો. તેની બીજી ફિલ્મ વિજયપથ સાથેની ડેટ ક્લેશને કારણે તેણે તેને નકારી કાઢવી પડી હતી. અજય દેવગન અને કાજોલ દેવગન પર નવીનતમ અપડેટ્સ અજય દેવગણે અંધેરીમાં ઓફિસ પ્રોપર્ટીમાં રૂ. કરોડથી વધુનું રોકાણ કર્યું હતું જુલાઈઅજય દેવગણે તાજેતરમાં મુંબઈના અંધેરીના ઓશિવારા વિસ્તારમાં પાંચ ઓફિસ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું. તેણેપ્રોપર્ટી બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શનમાં રૂ. કરોડથી વધુમાં ખરીદી હતી. તેમણેવર્ષે એપ્રિલમાં બંધ થયેલાવ્યવહારો માટે રૂ. કરોડથી વધુની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. ઑફિસો વીર સાવરકર પ્રોજેક્ટ્સના હસ્તાક્ષર હેઠળના વ્યાપારી પ્રોજેક્ટમાં સ્થિત છે. પાંચ મિલકતો બે માળમાંચોરસ ફૂટ કરતાં વધુ વિસ્તારમાં પથરાયેલી છે. જ્યારે ત્રણ ઓફિસો ટાવરના મા માળેચોરસ ફૂટના વિસ્તારમાં ફેલાયેલી છે, જ્યારે અન્ય બે ઓફિસોચોરસ ફૂટના વિસ્તાર સાથે મા માળે છે. આમાંથી ત્રણ ઓફિસો મા માળેચોરસ ફૂટના બિલ્ટ-અપ એરિયા સાથે છે, જ્યારે અન્ય બે પ્રોપર્ટી કોમર્શિયલ ટાવરના મા માળેચોરસ ફૂટમાં ફેલાયેલી છે. ઉપરાંત, દેવગનને બિલ્ડિંગમાં કાર પાર્કિંગ સ્લોટની ઍક્સેસ મળી. કાજોલ દેવગણે પણ તાજેતરમાંકરોડ રૂપિયાનું એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે અજય ઉપરાંત કાજોલ દેવગણે પણ સપનાના શહેરમાં રિયલ એસ્ટેટમાં મોટું રોકાણ કર્યું છે. તેણે જુહુના પોશ વિસ્તારમાં